તમારે તમારા અનુભવની જરૂર છે. તમારે તમારા જીવનની અનુભૂતિ કરવાની જરૂર છે, જેમાં અર્થ અને હેતુ છે. તમારે એ અનુભવવાની જરૂર છે કે માણસો તમને જોવે છે અને તમારી કિંમત કરે છે. તમારે એ અનુભવવાની જરૂર છે કે તમારું ભવિષ્ય છે જેનો અર્થ છે અને આ સંસ્કૃતિ આપણે બનાવી છે તે ઘણી બધી વસ્તુઓમાં સારું છે. અને ઘણી વસ્તુઓ વધુ સારી છે ભૂતકાળ કરતાં. મને આજે જીવંત રહેવાનો આનંદ છે,પરંતુ આપણા બધાને ઓછી અને ઓછી સારી આ બધી અંતર્ગત માનસિક જરૂરિયાતો મળી છે. અને તે એકમાત્ર વસ્તુ નથી જે ચાલે છે, પરંતુ મને લાગે છે કે તે મુખ્ય કારણ છે આ કટોકટી કેમ વધતી અને વધતી રહે છે. અને મને આ સમજવામાં ખરેખર મુશ્કેલ લાગ્યું. હું ખરેખર આ વિચાર સાથે લડ્યો મારી હતાશા વિશે વિચારવાથી દૂર થવું એ મારા મગજમાં એક સમસ્યા છે, ઘણા કારણો સાથે એક, જે રીતે આપણે જીવીએ છીએ તેમાં ઘણા શામેલ છે. અને મારા માટે તે ફક્ત ખરેખર સ્પષ્ટ થવાનું શરૂ થયું, જ્યારે એક દિવસ હું ઇન્ટરવ્યૂ પર ગયો દક્ષિણ આફ્રિકાના મનોચિકિત્સક નામે ડૉક્ટર. ડેરેક સમરફિલ્ડ. તે એક મહાન વ્યક્તિ છે. અને ડોક્ટર. સમરફિલ્ડ માં કંબોડિયામાં હતા, જ્યારે તેમણે પ્રથમ રજૂઆત કરી હતી રાસાયણિક એન્ટીડિપ્રેસન્ટ્સની તે દેશના લોકો માટે અને સ્થાનિક ડોકટરો, કંબોડિયન, આ દવાઓ વિશે ક્યારેય સાંભળ્યું ન હતું, તેથી તેઓ જેવા હતા, તેઓ શું છે અને તેણે સમજાવ્યું. અને તેઓએ તેને કહ્યું, અમને તેમની જરૂર નથી, અમારી પાસે પહેલાથી એન્ટીડિપ્રેસન્ટ્સ છે અને તેમને પૂછ્યું, "તમારો મતલબ શું? " તેણે વિચાર્યું કે તેઓ અમુક પ્રકારના હર્બલ ઉપાય વિશે વાત કરી રહ્યા છે, સેન્ટ જ્હોન્સ વોર્ટ જેવા, જિંકગો બિલોબા, તેના જેવું કંઇક. તેના બદલે, તેઓએ તેમને એક વાર્તા કહી. તેમના સમુદાયમાં એક ખેડૂત હતો જે ચોખાના ખેતરમાં કામ કરતો હતો. તેથી તેને કૃત્રિમ પગ લગાવ્યો, અને થોડા સમય પછી, તે પાછો ચોખાના ખેતરોમાં કામ કરવા ગયો, પરંતુ દેખીતી રીતે, તે ખૂબ જ પીડાદાયક છે પાણી હેઠળ કામ કરવા માટે જ્યારે તમારી પાસે કૃત્રિમ અંગ હોય છે, અને હું ધારી રહ્યો છું કે તે ખૂબ આઘાતજનક હતું પાછા જવું અને તે ક્ષેત્રમાં કામ કરવું જ્યાં તેનો પગ ઉડી ગયો હતો. આખો દિવસ તેણે રડવાનું શરૂ કર્યું, તેણે પથારીમાંથી બહાર નીકળવાની ના પાડી, તેણે ઉત્તમ હતાશાના બધા લક્ષણો વિકસિત કર્યા. કંબોડિયન ડોકટરે કહ્યું, "આ તે છે જ્યારે અમે તેને એન્ટીડિપ્રેસન્ટ આપ્યો. " અને ડોક્ટર. સમરફિલ્ડે કહ્યું, "તે શું હતું? " તેઓએ